તમે તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં કોઈ પણ વિડિયો એડિટ કરીને તેને રેંડર અથવા એક્સપોર્ટ કરો છો તો તે વિડિયો કેટલો જલ્દી તૈયાર થશે તે પણ પ્રોસેસરની ઝડપ ઉપર આધારિત હોય છે. તો ચાલો આપણે હવે પ્રોસેસર વિશે આગળ જાણીએ કે આ પ્રોસેસર એટલે શું? વિશે ઘણું તમને નવું આજે જાણવા મળશે. પ્રોસેસર એટલે શું? – પ્રોસેસર બનાવતી કંપનીઓના નામ શું છે? પ્રોસેસરમાં કોર શું હોય છે? પ્રોસેસરમાં કેમ હોય છે? પ્રોસેસરમાં નેનોમીટર શું હોય છે? પ્રોસેસરમાં થ્રેડ શું હોય છે? પ્રોસેસર એટલે શું? – પ્રોસેસર એક ચિપ હોય છે જેને કમ્પ્યુટરના મધરબોર્ડમાં લગાવવામાં આવે છે, પ્રોસેસર એક "સેટ્રલ પ્રોસેસિંગ યુનિટ" છે જેની પાસે કમ્પ્યુટરનો પૂરો પ્રોસેસિંગ પાવર હોય છે અને કમ્પ્યુટરમાં જેટલી પણ પ્રક્રિયા થાય છે તેને પ્રોસેસર પૂર્ણ કરે છે. કમ્પ્યુટરમાં ઈનપુટ કે આઉટપુટ અથવા તેના જેવા કોઈ પણ કાર્ય પ્રોસેસર દ્વારા થાય છે અને જો કમ્પ્યુટરમાં પ્રોસેસર ન હોય તો આપણે કમ્પ્યુટરમાં કોઈ પણ કાર્ય નથી કરી શકતા. પ્રોસેસરનો ઉપયોગ મોબાઇલ, લેપટોપ, ટેબલેટ જેવા વગેરે ડિવાઇસમાં થાય છે. ઉદાહરણ તરીકે તમારે પોતાના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશન ખોલવી છે, હવે તમારા મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશન ખોલવામાં જે પણ પ્રોસેસિંગ પાવર લગાવવામાં આવે છે તે પ્રોસેસર દ્વારા થાય છે. તમે એપ પર ક્લિક કર્યું અને તે એપ ખૂલી ગઈ તો તે કામ મોબાઇલમાં આવેલા પ્રોસેસર દ્વારા થાય છે. તમે તમારા કમ્પ્યુટરમાં કોઈ પણ સોફ્ટવેરનો ઉપયોગ કરો છો તો તે પણ એક પ્રોસેસર દ્વારા ખૂલે છે અને તમે સોફ્ટવેરમાં જે પણ કાર્ય કરો છો તો તે કાર્યને પણ પૂરું કરવાનું કામ પ્રોસેસર જ કરે છે. તમારા મોબાઇલ કે કમ્પ્યુટરમાં પ્રોસેસર જેટલું શક્તિશાળી હશે તેટલું જલ્દી તમારા મોબાઇલ કે કમ્પ્યુટરમાં કોઈ પણ કાર્ય પૂરા થઈ શકશે. પ્રોસેસર જ કમ્પ્યુટરનો એક મુખ્ય ભાગ છે જેના વગર ડિવાઇસની અંદર કોઈ પણ કામ કરવું અશક્ય છે. પ્રોસેસર બનાવતી કંપનીઓના નામ શું છે? પ્રોસેસર બનાવતી કંપનીઓ ઘણી બધી છે પણ પ્રોસેસર બનાવતી પહેલા આપણે તેનું ડિઝાઇન બનાવવું પડે, પ્રોસેસરની અંદર શું હશે, તેનો આકાર વગેરે સૌપ્રથમ નક્કી કરવું પડે છે. આપણે કોઈ પણ ઘર કે બિલ્ડીંગ બનાવીએ તો સૌપ્રથમ તેનું પ્લાનિંગ કરીએ છીએ અને ત્યારબાદ તે ઘર કે બિલ્ડીંગનું નિર્માણ થાય છે. તેવી જ રીતે એક કંપની છે જેનું પૂરું નામ " " છે. આ કંપની પ્રોસેસરના ડિઝાઇન, આર્કિટેક્ચરને બનાવીને તેનું લાઈસેન્સ અલગ-અલગ કંપનીઓને આપતી હોય છે. પ્રોસેસરમાં કોર શું હોય છે? પ્રોસેસરનો એક યુનિટ હોય છે જેમ કે તમારા ઘરમાં તમે એક